પરંતુ વિપક્ષી જૂથ નહીં પરંતુ ઘમંડિયા કહેવું જોઇએ. લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને સાંસદોની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બોઠકનો દોર ચાલું છે. આવી એક બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પચીસ વર્ષ પહેલા એડીએ ની રચના રાષ્ટ્રીય રાજનીતિક પરિદર્શમાં સ્થિરતા લાવવા માટે કરી હતી. પરંતુ વિપક્ષી જૂથ નહીં પરંતુ ઘમંડિયા કહેવું જોઇએ. સૂત્રોએ પીએમ મોદીના હવાલાથી કહ્યું કે મને લાગે છે કે આ તેમનું વર્ણન કરવાની શાનદાર રીત છે. લોકસભા ચૂંટણી પહેલા એનડીએના સાંસદો સાથે પીએમ મોદીની ક્ષેત્રવાર બેઠક બે હજાર ચોવીસ ની સામાન્ય ચૂંટણી પહેલા વિપક્ષી દળોએ એક છતરીની નીચે એક સાથે આવવાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનડીએ સાંસદોને ક્ષેત્રવાર સમૂહ બનાવીને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને ભરોસો અપાવ્યો છે કે બે હજાર ચોવીસ માં ભાજપ સત્તામાં વાપસી કરશે. ગુરુવારે સાંજે તેમણે પોતાના સાંસદોને કહ્યું કે તેમને પોતાના મત વિસ્તારમાં પરત જવું જોઇએ અને કડક મહેનત કરવી જોઈએ. નાની નાની ચીજો ઉપર ધ્યાન આપવું જોઈએ. આમી લોકસભા ચૂંટણીમાં હવે વધારે સમય બચ્યો નથી. એક્તા અને સ્થિરતા માટે થયું એનડીએનું ગઠન, બિહારના સાંસદોને પીએમ મોદીએ કહ્યું ભારતીય જનતા પાર્ટીના એક ઉચ્ચ સ્તરીય સૂત્રએ કહ્યું કે પીએમ મોદીએ બેઠકોમાં એનડીએના સાંસદોએ પોતાની ગતિવિધિઓ અને કાર્યક્રમોને જમીની સ્તર પર લોકો માટે અધિક આકર્ષક બનાવવા અને જાતિ અથવા ધર્મના છતાં સમાજના દરેક વર્ગ માટે કામ કરવાની સલાહ આપી છે. પીએમ મોદીએ બિહારના સાંસદોને પણ સંબોધિક કર્યા હતા. બિહાર એક એવું રાજ્ય છે જ્યાં ભાજપ પોતાના પૂર્વ સહયોગી જનતા દળ અને રાષ્ટ્રીય જનતા દળના સત્તારૂઢ ગઠબંધનથી કડક ટક્કર મળવાની આશા છે. થી લઈને એ મેદાનમાં કૂદવું પડ્યું કાકા-ભત્રીજાની લડાઈ ઉકેલાશે? આ પણ વાંચો જમ્મુ કાશ્મિરના કુલગામમાં સેના અને આતંકવાદીઓ સાથે અથડામણ, ત્રણ જવાન શહીદ ભાજપાએ હંમેશા પોતાના સહયોગીઓનું સમ્માન કર્યું, પીએમ મોદીએ કહ્યું કે બિહાર-મહારાષ્ટ્રની મિસાલ સૂત્રોએ કહ્યું કે પીએમ મોદીએ સંસદ સભ્યોને એ પણ વિશ્વાસ અપાવ્યો કે બાદથી પ્રમુખ રાજનીતિક ઘટનાઓને યાદ કર્યું કે કોંગ્રેસના વિપરીત ભાજપા હંમેશા પોતાના સહયોગીની સાથે ઊભી રહી છે. તેમના સમર્થન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી પાર્ટી હોવા છતાં બિહાર અને મહારાષ્ટ્રમાં મુખ્યમમંત્રી પદ પોતાના સહયોગીઓને આપવાના પાર્ટીના નિર્ણયના હવાલો આપતા સાંસદોને યાદ અપાવ્યું હતું કે ભાજપે હંમેશા પોતાના સહયોગીઓનું સમ્માન કર્યું છે. એકત્રીસ ઓગસ્ટે મુંબઈમાં મળશે ગઠબંધનની ત્રીજી બેઠક તેમણે સાંસદોને એ પણ કહ્યું કે રાજનીતિમાં ત્યાગ અને બલિદાનનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમણે આશ્વાસન આપ્યું છે કે ભાજપના નેતૃત્વવાળી સરકારે લોકો સાથે કરવામાં આવેલા બધા વાયદાઓ પુરા કર્યા છે. પીએમ નરેન્દ્ર મોદી રાજકારણ લોકસભા